આમ કંપની હાલની માર્કેટ પ્રાઇસ કરતા લગભગ દસ ટકા ઉંચી કિંમતો શેરધારકો પાસેથી બાયબેક કરશે. બીચારે બાયબેકની ઘોષણાને સારો પ્રતિ પ્રતિસાદ આપ્યો હોય તેમ ત્યારબાદથી અત્યાર સુધીંમાં શેર આઠ ટકા જેટલો વધ્યો છે. જ્યારે બાયબેકની જાહેરાત કરવામાં આવી ત્યારે તે સમયે શેરનો ભાવ રૂપિયા ત્રણસો ચુમોતેર હતો અને હાલ શેર ચારસો ચાર રૂપિયાની આસપાસ બોલાઇ રહ્યો છે. તો ચિંતા કરવાનું બંધ કરો, સરકારે આ દેશ સાથે કર્યો સોદો, થશે સસ્તા! તમારે સ્ટોક વેચવા જોઈએ કે નહીં, માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો તમે વિપ્રોમાં શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી રાખો છો તો બાયબેક સારો સોદો થઈ શકે છે. કંપની વર્તમાન ભાવથી પણ દસ ટકાના પ્રીમિયમ પર તેના શેર બાયબેક કરશે. બીજી બાજુ, જો તમે તેને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જુઓ, તો તેમાં મિશ્ર આઉટલૂક દેખાઇ રહ્યું છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલે ન્યુ્ટ્રલલ રેટિંગ સાથે વિપ્રોના શેર ભાવ માટે ત્રણસો સાઈઠ રૂપિયાનો પ્રાઇસ ટાર્ગેટ આપ્યો છે. આવી રીતે શેર બાયબેક સારો સોદો બની શકે છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલના અહેવાલ મુજબ, કંપનીએ બાયબેકનું કદ મોટું રાખ્યું છે. આનાથી કંપની રોકડ અને રોકાણનો નોંધપાત્ર હિસ્સો ગુમાવશે અને નાણાંકીય વર્ષ પછીના પેયા પેયાઉટને ટકાવી રાખવાની તેની ક્ષમતાને અસર કરી શકે છે. બ્રોકરેજ હાઉસ તોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝયે પણ વિવો પર ત્રણસો સાઈઠ રૂપિયાના ટાર્ગેટ સાથે રેટિંગ આપ્યુ છે, જે વર્તમાન ભાવના કરતાં નીચો છે. બ્રોકરેજ હાઉસ નિર્મલ બેંગે રેટિંગ સાથે ત્રણસો પચાસ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આવી સ્થિતિમાં તમે ટૂંકા ગાળા માટે બાયબેકનો ફાયદો ઉઠાવી શકો છો. પરંતુ આ બ્રોકરેજને તેજીની અપેક્ષા બ્રોકરેજ હાઉસ એમકે ગ્લોબલે વિપ્રોના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે અને ચારસો સિત્તેર રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન કિંમત કરતાં લગભગ છાસઠ રૂપિયા અથવા સોળ ટકા ઉંચો છે તેમજ ચારસો પિસ્તાલીસ રૂપિયાની બાયબેક પ્રાઇસ કરતાં પચ્ચીસ રૂપિયા ઉંચુ છે. બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલએ શેર ખરીદવાની સલાહ આપી છે અને ચારસો પચાસનો ટાર્ગેટ આપ્યો છે, જે કન કરનર માર્કેટ પ્રાઇસ કરતા છેતાલીસ રૂપિયા ઉંચો ભાવ છે. આમ બાયબેકમાં શેર વેચીને તમે લાંબા ગાળે ઊંચા રિટર્નનો ફાયદો લેવાનું ચૂકી શકો છો. આવા સ્ટોકમાં રોકાણથી કટોકટી કે મોંઘવારી વચ્ચે મળશે કમાણીનો મોકો. શેર ભાવ પર બાયબેકની અસર, શેર બાયબેક એ કંપની અને શેરના ભાવને ઘણી રીતે અસર કરે છે.